વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો. ત્રણ સિસ્ટમ સક્રિય, ચાર દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી. દાહોદમાં 'સ્માર્ટ સિટી'નું બોર્ડ પડતાં ત્રણ ના મોત. હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે બે થી પાંચ જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન, ગાજવીજ અને વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. આ બન્ને શહેરમાં મહત્તમ તાપમાન ઓગન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં ચોમાસાની પ્રગતિને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, કેરળમાં ચાર જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થવાની શક્યતા છે. વરસાદી માહોલના કારણે ગરમીમાં રાહત રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં અનેક જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસવાના કારણે તાપમાનમાં એક જ દિવસમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં એક દિવસમાં ચાર ડિગ્રી તાપમાન ઘટી જતા લોકોને આકરી ગરમીમાં રાહત મળી છે. આ પહેલાં એક જૂનની રાત્રે અને બે જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત સુરત, નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં પચાસ થી ચાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક શહેરો અને ગ્રામ્ય પંથકોમાં અંધારપટ છવાયો હતો. તો બીજી તરફ કુદરતી આફતના કારણે દાહોદમાં ત્રણ લોકોના તો બનાસકાંઠામાં વીજળી પડતા ભેંસનું મોત થયું છે. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં શેડના પતરા પણ ઉડીને તૂટી ગયાં છે. ખેતરમાં રહેલા તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતોએ વળતરની માગ કરી છે. એક જૂનના વરસાદની પળેપળની અપડેટ માટે. દાહોદમાં વાવાઝોડાને કારણે ત્રણના મોત દાહોદમાં સોમવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું મહાકાય સાઈન બોર્ડ તેજ પવનમાં ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ઉસારવણ ગામના ડુંગર ફળિયાના સાઠ વર્ષીય શક્કરિયા નિનામાનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તનું સારવારમાં મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા ત્રેવીસ જૂન, બે હજાર સત્તર રોજ દાહોદ શહેરને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેથળ સ્માર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના 'સ્માર્ટ સિટીઝ મિશન' અંતર્ગત બહાર પાડવામાં આવેલા રાઉન્ડ-ત્રણ ના લિસ્ટમાં દેશના ત્રીસ શહેરોની